વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ. શિયાળામાં આકાશ ચોખ્ખું હોય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે, માખી અને મચ્છરનો ઉપદ્રવ હોતો નથી. આમ, શિયાળામાં વાતાવરણ ખુશનુમા હોય છે. શિયાળાની સવાર એટલે સ્ફુર્તિનો ખજાનો. ગામડામાં વહેલી સવારે વલોણા અને ઘંટીઓના અવાજ સંભળાય છે. ખેડૂતો ખેતરમાં જઈ ખેતીના કામમાં લાગી જાય છે. શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે. યુવાનો દોડવા જાય છે. કેટલાક યુવાનો કસરત પણ કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સવારે સૂર્યનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે. શિયાળામાં વૃક્ષોનાં પાન ખરી પડે છે. તે નવા ફુટનારા પાન માટે જાણે જગ્યા કરી આપે છે. શિયાળો તંદુરસ્તી આપનારી ઋતુ છે. શિયાળામાં ભૂખ વધારે લાગે છે. તેથી લોકો વસાણાં ખાય છે. શિયાળામાં જાતજાતના શાકભાજી થાય છે. એટલે ઊંધિયુ ખાવાની મજા આવે છે. શિયાળામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે. તે નાના-મોટા સૌને પ્રિય તહેવાર છે. બધાને પતંગ ચગાવવાની ખૂબ મજા પડે છે. શાળામાં ક્યારેક અતિશય ઠંડી પડે છે. લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, કોટ, શાલ,મફલર અને ગરમ ધાબડા કે રજાઇનો ઉપયોગ કરે છ,. કેટલાક લોકો ટાઢથી બચવા માટે તાપણું કરે છે. શિયાળો તાજગી,તંદુરસ્તી અને સ્ફૂર્તિ આપનાર ઋતુ છે. મારી મમ્મીનું નામ શીલાબેન છે. તેની ઉંમર આશરે થર્ટી ફાઈવ વર્ષની છે. તે ખૂબ દેખાવડી છે. તે મને ખૂબ વ્હાલ કરે છે. તે બેંકમાં નોકરી કરે છે. મારી મમ્મી સવારે વહેલી ઉઠે છે. તે ઘરના બધા કામ જાતે કરે છે. મારી બહેન મારી મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. મારી મમ્મી ની બનાવેલી રસોઈ બહુ સ્વાદિષ્ટ હોય છે. મમ્મી મને સવારે વહાલથી જગાડે છે અને તૈયાર કરે છે. રોજ અમે બંને સાથે જમવા બેસીએ છીએ. તે બેંકમાં જતી વખતે મને નિશાળે મૂકતી જાય છે. તે મને સાંજે નિશાળે લેવા માટે આવે છે. મારી મમ્મી મને રોજ મારા સ્વાધ્યાયમાં મદદ કરે છે. મારા મમ્મી પપ્પા, મારા દાદા-દાદી ની સારી દેખરેખ રાખે છે. મારી મમ્મીને ગીતો અને ભજનો ખાવાનો શોખ છે. તે ઘરમા કામ કરતા કરતા ગીતો અને ભજનો ની કેસેટ વગાડે છે. રજાના દિવસે અમે મમ્મી અને પપ્પા સાથે બગીચામાં ફરવા જઈએ છીએ. કોઈ વાર અમે બધા ફિલ્મ કે નાટક જોવા પણ જઈએ છીએ. મારી મમ્મી સદાય ખુશ રહે છે. જો અમારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે અમને પ્રેમથી સમજાવે છે. મારી મમ્મી ઘરમાં ન હોય ત્યારે મને ઘર સૂનું સૂનું લાગે છે. મારી મમ્મી મને ખૂબ વહાલી છે.